પિયાનોની તેજસ્વી સોનેરી ફ્રેમ સરંજામ સહાયક માટે ખરાબ પસંદગી નથી. ઘરની બાલ્કની એક સુંદર એકાંત છે, જે ડેકોર અથવા ફર્નિચર દ્વારા અવરોધિત નથી. વધુમાં, ઘરના મોટાભાગના ખૂણાઓને ઉત્કૃષ્ટ ડ્રેપ્સ, ફ્લોરલ બેકડ્રોપ્સ અને લાકડાના રાચરચીલુંથી ભાર મૂકવામાં આવે છે. અલીબાગમાં રણવીર સિંહનું ઘર. અલીબાગની પ્રોપર્ટી રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણે કરોડ રૂપિયામાં ખરીદી હતી. રણવીર સિંઘ હાઉસ મપગાંવ ગામમાં આવેલું છે અને તેનો બિલ્ટ-અપ એરિયા ચોરસ ફૂટ અને જમીનનું કદ એકર છે. પાંચ બેડરૂમ ધરાવતું અપસ્કેલ ઘર અલીબાગના સતીર્જે ઉપનગરમાં આવેલું છે. ઓગસ્ટ માં દંપતીના નવા ઘરમાં ગૃહ પ્રવેશ પૂજા કરવામાં આવી હતી. રણવીર સિંહ તેના ઘરની બાલ્કનીમાં. રણવીર સિંઘ હાઉસની ડિઝાઈન ઈસ્ટ મીટ વેસ્ટના કન્સેપ્ટથી પ્રેરિત હતી, પરિણામે આધુનિક અને પરંપરાગત તત્વોનું સૂક્ષ્મ મિશ્રણ થયું. અપાર્ટમેન્ટમાં હાઇ-એન્ડ રાચરચીલું વિપુલ પ્રમાણમાં છે, જે તેજસ્વી રંગોથી પણ સુશોભિત છે. બીજી વસ્તુ જે દીપિકા અને રણવીર સિંહના મુંબઈના ઘરમાં વારંવાર જોવા મળે છે તે છે ફ્લોરલ બેકગ્રાઉન્ડ, લાકડાના ફર્નિચર અને વિશ્વભરમાંથી આયાત કરાયેલા અવશેષોનો ઉપયોગ. રણવીર સિંહનું બેટમેન-પ્રેરિત જીમ ઓન વ્હીલ્સ. રણવીર સિંહનું જીમ સંપૂર્ણ લઘુત્તમ છે. આશ્ચર્યજનક રીતે, રણવીર સિંહની તેના જીમ ઓન વ્હીલ્સ માટે સંક્ષિપ્ત ડિઝાઇનની જરૂરિયાત અભિનેતાના મહત્તમવાદી વલણથી તદ્દન વિપરીત હતી. સેલિબ્રિટી ડિઝાઇનર રુપિન સુચક ઇન્ટિરિયર માટે પ્રેરણારૂપ હતા. તે જોતાં, વિસ્તાર કાફલાના આંતરિક ભાગ જેવો ઓછો અને અલ્ટ્રામોડર્ન ક્લાઇસ્ટર જેવો લાગે છે. તે આકર્ષક અરીસાવાળી દિવાલો અને પ્રકાશની અનંત છત સાથે સંપૂર્ણતા માટે મોનોક્રોમેટિક છે. ડિઝાઇનર રુપિન સુચકના જણાવ્યા અનુસાર, વાહન નો હેતુ સમગ્ર દેશમાં ચલાવવાનો હતો અને શૂટિંગ દરમિયાન તેની સાથે હતો. આમ, તે સામાન્ય અમલીકરણ કરતાં વધુ હોવું જરૂરી હતું. રણવીર સિંહ કરિયર. રણવીરે અભિનયનો અભ્યાસ કર્યો હતો અને તેની કોલેજ માઇનર તરીકે થિયેટર પસંદ કર્યું હતું. સહાયક દિગ્દર્શક તરીકે કામ કરવાનું શરૂ કરતા પહેલા, તેણે જાહેરાત ઉદ્યોગમાં કોપીરાઈટર તરીકે કામ કરવામાં થોડા વર્ષો વિતાવ્યા. ટૂંક સમયમાં જ, તેમણે વ્યવસાયિક રીતે અભિનય કરવા માટે સહાયક નિર્દેશક તરીકેની તેમની સ્થિતિ છોડી દીધી અને તેમના પોર્ટફોલિયોને નિર્દેશકોને સોંપવાનું શરૂ કર્યું. ઘણા સમર્પિત પ્રયત્નો પછી, રણવીરને જાન્યુઆરી માં યશ રાજ ફિલ્મ્સ તરફથી એક ઓડિશનમાં હાજરી આપવા માટે કોલ આવ્યો, ખાસ કરીને બેન્ડ બાજા બારાતમાં મુખ્ય ભૂમિકા માટે. ટૂંક સમયમાં જ, તેને અનુષ્કા શર્મા સાથે બિટ્ટો શર્મા તરીકે કાસ્ટ કરવામાં આવ્યો. ફિલ્મ બેન્ડ બાજા બારાત બોક્સ ઓફિસ પર અને ક્રિટિકલ હિટ રહી હતી. તેના અભિનયને મળતા સાનુકૂળ પ્રતિસાદને કારણે રણવીર રાતોરાત સનસનાટીભર્યો બની ગયો હતો. રણવીર સિંહ નેટ વર્થ. ક્રોલ દ્વારા નવા સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન વિશ્લેષણ અનુસાર, બોલિવૂડ સ્ટાર રણવીર